અમે તમને જણાવી રહ્ય છે તે ત્રણ ખૂબીઓ વિશે જે તમારા અંદર છે તો મહિલાઓ તમારી તરફ નક્કી રૂપે આકર્ષિત થશે. સુપરમેન ક્વાલિટીજ મહિલાઓ પોતે કેટલી પણ સક્ષમ હોય તેને સારું લાગે છે કે જોએ કોઈ તેની સુરક્ષા કરવાની જવાબદારી ઉઠાવીએ. પણ પૂરા કાંફીડેંસની સાથે જ્યારે પણ અવસર મળે આ વાતને જોવાવવાની અને સિદ્ધ કરવાની કોશિશ કરે કે તમે તમારા પાર્ટનરને મુશ્કેલ ઘડીમાં દરેક રીતે સુરક્ષિત રાખી શકો છો અને તે તમારી સાથે પૂરી રીતે સેફ અનુભવ કરશે. મહિલાઓ હમેશા એવા જ પુરૂષોને પસંદ કરે છે જેની સાથે રહીને તેને પ્રોટેક્ટિવ અનુભવ હોય છે. સેંસ ઑફ સ્ટાઈલ આવું કદાચ નહી કે કોઈને ઈમ્પ્રેસ કરવા માટે તમે તમારા બજ બજટથી બહાર જઈને બ્રેંડેડ કપ અને વસ્તુઓ ખરીદો પણ તમે રોડસાઈડથી પણ કઈક ખરીદી રહ્યા છો તો આ વાતનો ધ્યાન રાખો કે તે કપડા કે એસેસરીજમાં કઈક ક્લાસ હોય અને તે તમારા પર સ્ટાઈલિશ જોવાય. સાથે જ કોશિશ કરવી કે તમે તમારી કોઈ પણ એક રીતના સ્ટાઈલને હમેશા મેનટેન કરીને રાખવી. મહિલાઓ આવું કદાચ નહી ઈચ્છતી કે તમે ડેવિડ બેકહમ કે સલમાન ખાનની કૉપી કરવી. આવું કરવાની જગ્યા તમે તમારા એક જુદો જ અને યુનિક સ્ટાઈલ ડેવલપ કરવું. મહિલાઓને જે ક્વાલિટી પુરૂષોમાં સૌથી વધારે પસંદ આવે છે તે છે સેસ ઑફ હ્યૂમર. મહિલાઓની પોતાની આટલી સમસ્યાઓ હોય છે અને તેને તેનાથી ડીલ કરવું હોય છે. તેથી તેને એવા માણસની કદાચ જરૂર નહી હોય છે કે પોતે ડિપ્રેસ્ડ હોય. હા ક્યારે કયારે મૂડ ખરાબ હોવું દરેક કોઈની સાથે હોય છે. પણ જો તમારું સેસ ઑફ હ્યૂમર સારું છે અને તમે તમારી આસપાસને હસ હંસાવી શકો છો, તેના ખરાબ મૂડને સારું કરવાની ક્વાલિટી તમારામાં છે તો છોકરીઓ કે મહિલાઓ તમને જરૂર પસંદ કરશે.